જ્યારે તમે દરરોજ કોઈ વસ્તુનો ઉપયોગ કરતા નથી, તો પછી તમે તેને દરરોજ જોવા પર માંગતા નથી. ઠીક છે, છે છત કેબિનેટ્સ સમસ્યાને હલ કરે છે. વધારાના ધાબળા, ખાલી બોક્સ અને ભાગ્યે ઉપયોગમાં લેવાતી એસેસરીઝ જેવી વસ્તુઓ કેબિનેટમાં રાખી શકાય છે. છત કબાટ. ફાઇબર પેનલ્સ તમારા દિવાલના રંગ જેવા છે. ફાઈબર પેનલવારા કપડા સરલતાથી નુકસાન કરતા નથી, અને તે સામગ્રી તરીકે ખૂબ મજબૂત છે. તમે ફાઇબર પેનલની કોઈપણ ડિઝાઇન અને રંગ પસંદ કરી શકો છો, પરંતુ તમારી દિવાલ જેવો રંગ પસંદ કરવાથી તમારો રૂમ કદમાં મોટો દેખાય છે. ફાઇબર પેનલનો ઉપયોગ કરીને કપડા. તેને ખુલ્લો અને વ્યવસ્થિત રાખો. ઠીક છે, જો તમારી પાસે સંપૂર્ણ સુવિધાયુક્ત કપડા નથી, તો તમે શું કરી શકો તે અહીં છે. એક સુવ્યવસ્થિત ખુલ્લા કપડા બનાવો. અને જો તમે ખુલ્લા કપડા સાથે ખૂબ આરામ આરામદાયક નથી, તો પછી તમે તેને સર્વોપરી પડદાથી આવરી શકો છો. વૉક-ઇન કપડા. તમારા કપડા હેઠર બોક્સ વાપરીને તમારી સ્ટોરેજ સ્પેસને વધુ વ્યવસ્થિત અને સ્વચ્છ બનાવવા માટે, તમે બોક્સ, બાસ્કેટ અને સ્ટોરેજ ક્યુબ્સનો ઉપયોગ કરી શકો છો. તમે તેને સરલતાથી ઑનલાઇન અથવા દુકાનોમાં શોધી શકો છો. તમારા કબાટ માટે વધારાની બાસ્કેટ. બેડ કબાટ હેઠર. જો તમારી પાસે જગ્યાની સમસ્યા હોય, તો પલંગની નીચે ચુન્દા દેખાતા કબાટને ડિઝાઇન કરો. તેઓ સ્લાઇડિંગ કબાટ હોઈ શકે છે, જે બંને બાજુઓ માટે એકમોમાં વહેંચાયેલા છે. તમારા પથારીમાં એકમો. સી-થ્રુ ગ્લાસ. જો તમે સંગથીત વ્યક્તિ છો, તો દેખાવ તમારા રૂમને અતિ ભવ્ય બનાવી શકે છે. ગ્લાસ ફિનિશ તમારા રૂમને આટલો આકર્ષક દેખાવ આપે છે અને તમારા રૂમને નાનો લાગતો નથી. સી-થ્રુ દરવાજા ઊંચાઈ અને જગ્યાનો ભ્રમ બનાવે છે. જુઓ-થ્રુ પેનલ કપડા. તમારા કપડાની ડિઝાઇનમાં વિશિષ્ટતાઓ ઉમેરી રહ્યા છીએ. જ્યારે તમે ઇચ્છો છો કે તમારી મોટાભાગની સામગ્રી બંધ કમ્પાર્ટમેન્ટમાં હોય પરંતુ તમારી માલિકીની કેટલી સારી સામગ્રી પ્રશતીશ કરવા માંગતા હો, તો વિશિષ્ટ કમ્પાર્ટમેન્ટમાં તેના માટે શ્રેષ્ઠ છે. તેઓ ટ્રેન્ડી લાગે છે અને તમારા આખા કપડાને વધુ મોટો બનાવે છે. વિશિષ્ટ સાથે કપડા. સંગ્રહ સાથે દિવાલ આસપાસ. પછી ભલે તે તમારા પલંગની પાછળની દિવાલ હોય કે તમારા દરવાજાની દિવાલ, તમારા કપડાને ડિઝાઇન કરવા માટે સંપૂ દિવાલનો ઉપયોગ કરો. તે તમારી દિવાલનો ભાગ જેવું લાગે છે અને તે સમયે કાર્યશ્રમ રીતે જગ્યાનો ઉપયોગ કરે છે. સંપૂર દિવાલ કપડા. તમારા વૉશરૂમને અલગ કરતી દિવાલનો ઉપયોગ કરો. તમારા બેડરૂમ માટે એક ખૂબ બુદ્ધિશારી આધુનિક કપડાની ડિઝાઇન છે, જ્યાં તમે દિવાલનો ઉપયોગ કરી શકો છો જે તમારા બેડરૂમમાંથી તમારા સ્યુટને અલગ કરે છે. જો તમારું વૉશરૂમ તમારા રૂમ સાથે